હવે અમારે આ ઉપકરણો વાસ્તવિક લોકો પર પરીક્ષણ કરવાનું હતું. તેથી અમે લગભગ સો પ્રેસબ્રોપેસની ભરતી કરી અને તેમને અમારા ઉપકરણ પર કામગીરી નું પરીક્ષણ કર્યું. જે અમે જોયું તેથી અમને ખાતરી થઇ કે ઑટોફોકેલ્સ જ ભવિષ્ય. અમારા સહભાગીઓ તેમને વર્તમાન ના કરે કશન કરતા વધુ સ્પષ્ટ અને ઝડપથી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકયા. અને તે સરળ અને વધુ સારો ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુભવ કરીયો. સરળતા કહીએ તો, જ્યારે દ્રષ્ટિની વાત આવે છે, આજે ઉપયોગમાં આવેલ સ્થિર સુધારણા ની જેમ ઑટોફોકેલ સમાધાન નહિ કરતુ. પરંતુ હું મારી જાતથી આગળ વધીશ નહિ. મારે અને મારા સહકર્મચારીઓ જે હજી ખુબ જ કામ કરવાનું બાકી છે. દાખલતરીકે. અમારા ચશ્મા થોડા ભારી છે? કદાચ અને આનું એક કારણ એ છે કે અમે ભારી અંશો વાપર્યા છે જે સંશોધન કે ઉદ્યોગમા વાપર્યા છીએ. બીજું એ કે અમારે બધું બાંધવું પડે છે કારણ કે વર્તમાન નું આંખ-ટ્રેક કરવાનું ગણિત જોઈએ એટલું મજબૂત નથી. તો આગળ વધતા, અમે સંશોધન થી વ્યવસાય તરફ જતા અમારી યોજના ભવિષ્ય ના ઑટોફોકેલ્સ ને ચશ્મા જેવા બનાવીની છે. આના માટે, અમારે અમારા આંખ ટ્રેકિંગ ના ઉપાયોમાં નોંધપાત્ર સુધારા કરવા પડશે. અમારે નાના અને વધુ કાર્યક્ષમ ઇલેક્ટ્રોનિક્સ અને લેન્સ પણ ઉમેરવા પડશે એને માટે, અમારું હમણાનું આદિરુપ પણ, અમે બતાવ્યું છે કે આજની ફોકસ-ટ્યુનેબલ લેન્સ ટેકનોલોજી સ્થિર કરેક્શનના પરંપરાગત સ્વરૂપોને આગળ વધારવા માટે સક્ષમ છે તો એ બસ સમય ની વાત છે. એક વાત સાફ છે કે આવનારા ભવિશ્યમાં, કયા ચશ્માં ક્યારે પહેરવા એની ચિંતા કરતા આપણે બીજી અગત્ય ની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આભાર ક્રિશ્ચિયન હેપ્પી: સેંટિનેલ સક્રિય રોગને દૂર કરવા માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ સે. તે ત્રણ મોટા સ્તંભો પર બનાવવામાં આવ્યું છે. પારટીસ સબેતી: પ્રથમ આધારસ્તંભ એ ડિરેક્ટ છે. ખ્રિસ્તી અને હું અભ્યાસ કરી રહ્યા છીએ ચેપી રોગો એક સાથે બે દાયકાથી વિશ્વભરમાં. અમે જેનોમ સેક્વિનસીંગનો ઉપયોગ કરી રહ્યા છીએ. સંપૂર્ણ વાંચન સૂક્ષ્મજીવાણુની આનુવંશિક માહિતી, તે અમને વાયરસ ઓળખવા માટે પરવાનગી આપે છે, તે પહેલાં જે આપણે પહેલાં ક્યારેય જોયા નથી, જેમ તેઓ ફેલાય તેમ ટ્રેક કરો અને નવા પરિવર્તન માટે જુઓ. અને હવે શક્તિશાળી સાથે જીન-ઓડિટિંગ ટેકનોલોજી સીઆરઆઈએસપીઆર, આપણે આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ ઝડપથી ઉત્કૃષ્ટ સંવેદનશીલ ડિઝાઇન કરવા માટે કોઈપણ માઇક્રોબ માટે ડાયગ્નોસ્ટિક પરીક્ષણો. સીએચ: આમાંના એક સાધનને શેરલોક કહેવામાં આવે છે. તેનો ઉપયોગ જાણીતા વાયરસના પરીક્ષણ માટે થઈ શકે છે અને કાગળ સ્ટ્રિપ્સ પર. તે ખૂબ સસ્તું છે, અને ફ્ન્ટલાઈન